જો હા, તો તમારી આદત બદલવાનો સમય આવી ગયો છે. અનુસાર ફેંગ શુઇ, અવ્યવસ્થિતતા શાંતિ અને સંવાદિતાનો સૌથી મોટો દુશ્મન છે. પછી ભલે તે તમારા પલંગની નીચે તમારા મનપસંદ જૂતાની જોડી હોય, તમારા કબાટમાં કપડાંનો ઢગલો હોય, અથવા તમારા ડ્રેસર પરનો રેન્ડમ જંક હોય, યાદ રાખો કે યોગ્ય રીતે તૈયાર કરવામાં આવેલી જગ્યા પણ અવ્યવસ્થિત હોય તો રૂમમાં ઊર્જાના પ્રવાહને પ્રતિકૂળ અસર કરી શકે છે. તેથી, અવ્યવસ્થિતને સાફ કરો અને તે બધાને યોગ્ય રીતે સાફ કરો, અનઅન્યથા, તે માત્ર એક કંટાળાજનક ઊંઘ તરફ દોરી જશે. ઈલેક્ટ્રોનિક્સ, બેડરૂમમાં મોટો ના! બેડરૂમમાં ઇલેક્ટ્રોનિકસ ઉપકરણોને મર્યાદિત કરો. બેડરૂમને આરામ અને આરામ કરવાની જગ્યા માનવામાં આવે છે, તેથી સલાહ આપવામાં આવે છે કે તેને ઇલેક્ટ્રોનિક્સ અથવા વર્કસ્પેસની આવશ્યક વસ્તુઓ સાથે લેયર ન કરો. જો તમને તે અનિવાર્ય લાગે, તો તમે ઈલેક્ટ્રોનિક વસ્તુઓને કપડાના ટુકડામાં ઢાંકી શકો છો અને તેને તમારા પલંગથી થોડા અંતરે મૂકી શકો છો. તે તમારા મનમાં સતત સતર્કતા પેદા કરશે અને તમારી ઊંઘનો નાશ કરશે. સૂક્ષ્મ અને મ્યૂટ કલર ટોન. બેડરૂમનો રંગ યોગ્ય રીતે મેળવો! જો રાત્રે સારી ઊંઘ મેળવવી અશક્ય ધ્યેય લાગે છે, તો તમારા બેડરૂમમાં તેજસ્વી રંગો અને પેટર્નને સૂક્ષ્મ અને સુખદ કલર ટોન સાથે બદલવાનો પ્રયાસ કરો. તમે પેસ્ટલ ટોન માટે જઈ શકો છો કારણ કે તેઓ સુમેળભર્યા બૌડોઇર અને રૂમમાં સંતુલનની ભાવના પ્રદાન કરે છે. મિરર, મિરર ઓન વોલ. બેડરૂમમાં અરીસો ક્યાં મૂકવો તે જાણો. જ્યારે અરીસો વધુ વ્યાપક દેખાતા રૂમને હાંસલ કરવા માટે શ્રેષ્ઠ વસ્તુઓમાંની એક છે, ફેંગ શુઇ મુજબ બેડરૂમમાં સુધારો કરતી વખતે તે સૌથી અનુકૂળ વસ્તુ નથી. પરંતુ તેનો અર્થ નથી કે બેડરૂમમાં અરીસાઓ નો-ના છે. તેનો સીધો અર્થ એ છે કે અરીસો મૂકતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. બેડરૂમમાં અરીસો મૂકતી વખતે, તમારે માત્ર એટલું સુનિશ્ચિત કરવું પડશે કે અરીસો બેડ સાથે સુસંગત નથી કારણ કે તે સમગ્ર રૂમમાં ઊર્જા ઉછાળવાનું વલણ ધરાવે છે જે દૃષ્ટિની રેખામાં વધુ વિચલિત કરનારા તત્વો મેળવે છે. અરીસાને સ્થિત કરવા માટેનું એક આદર્શ સ્થળ વિન્ડોની સામે છે કારણ કે જ્યારે બેસીને આરામ કરવાનો પ્રયાસ કરો ત્યારે તે તમારી સાથે દખલ કર્યા વિના વધુ કુદરતી પ્રકાશ લાવશે